જ્યારે તમે કંઈક સરળ અને સર્જનાત્મક વિચારી શકો ત્યારે ખાસ પ્રસંગોએ રંગોળી ડિઝાઇન કરવા માટે શા માટે મોંઘા રંગો, સ્પાર્કલ્સ અને આભૂષણો માટે જાવ? ગણેશજીને રંગોળી બનાવવા માટે લાલ ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરો. તમે ગણેશના મુગટને ડિઝાઇન કરવા માટે કોઈપણ સફેદ ફૂલની થોડી પાંખડીઓનો ઉપયોગ પણ કરી શકો છો અને રંગોળીની ડિઝાઇનમાં થોડો રંગ આનંદ ઉમેરી શકો છો. ઉપરાંત, તમેરંગોળીને જીવંત અને ઉત્સાહી અનુભવ આપવા માટે લીલોતરીનો સમાવેશ કરી શકો છો. આવી રંગોળી ડિઝાઇનની સારી બાબતછે કે તમારે તેને બનાવવા માટે પૂરતા સમયની જરૂર નથી. આવી આકર્ષક રંગોળીઓ ડિઝાઇન કરવા અને ઘરની અંદર સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવવા માટે થોડીક મિનિટો અથવા તો સેકન્ડ પૂરતી છે. આના જેવી સરળ અને સુંદર ગણેશ રંગોળી વડે તમારા ઘરના વાતાવરણને તાજું બનાવો સરળ રંગોળી ડિઝાઇન બનાવવાના વિવિધ પ્રકારો બિંદુઓની રંગોળીરંગોળીના ઘણા અત્યાધુનિક અને જટિલ પ્રકારો છે, પરંતુ બિંદુઓવાળી રંગોળી સૌથી સુંદર અને સરળ છે. પેટર્ન બનાવવા માટે જરૂરી સંખ્યામાં બિંદુઓ સાથે ડોટેડ ગ્રીડની જરૂર છે. તે શિખાઉ લોકોમાં લોકપ્રિય સૌથી સરળ અને સરળ રંગોળી ડિઝાઇનમાંની એક છે. કમળ, મોર, કાચબો અને અન્ય પ્રાણીઓની છબીઓ બિંદુઓ સાથે બનાવવામાં આવી છે. તમે ચોરસ, વર્તુળો અને તારાઓ સહિત બિંદુઓ સાથે ઘણા સ્વરૂપો બનાવી શકો છો. પાછળથી, તમે તેને આકર્ષક દેખાવ આપવા માટે સુંદર રંગોમાં રંગો ભરી શકો છો. રંગોળીનું સ્વરૂપસૌથી સામાન્ય રંગોળીના આકારો શંકુ, વર્તુળો અને રેખાઓ છે. સુશોભન રંગોળીદેવતાઓ, પાંખડીઓ, પક્ષીઓ, ફૂલો, પ્રાણીઓ અને વૃક્ષો તમામ સુશોભન રંગોળીમાં જોવા મળે છે. મધ્યમાં, તેમાં સામાન્ય રીતે સ્વસ્તિક, ચંદ્ર, શંખ અથવા સૂર્ય હોય છે. સર્પ જોડીનો દેખાવ બનાવવા માટે બે સમાંતર રેખાઓની મધ્યમાં બે વક્ર રેખાઓ ઉમેરવામાં આવે છે. સૂર્ય, ભગવાન વિષ્ણુ અને બ્રહ્માંડના આઠ હોકાયંત્ર બિંદુઓ કમળની આઠ પાંખડીઓમાંથી એક દ્વા દ્વારા પ્રતીકિત છે. ભારતમાં, કમળ પ્રજનનનું ચિહ્ન છે અને દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે. સરળ રંગોળી ડિઝાઇન માટે વપરાતી વિવિધ સામગ્રી રંગોળીના રંગોસામાન્ય રીતે સિન્થેટીક અને કેમિકલ આધારિત રંગોનો ઉપયોગ સરળ અને સરળ રંગોળી ડિઝાઇન બનાવવા માટે થાય છે. આરસ અને લાકડાંઈ નો વહેરકરવત અને આરસની ધૂળ ભારે હોવાથી તે ઝડપથી ફેલાય છે. તમે કરવતની ધૂળ સાથે સંશોધનાત્મક મેળવી શકો છો કારણ કે તે પાણી પર તરે છે. તમારી રંગોળી પેટર્ન સાથે કલ્પનાશીલ બનો અને દીવાઓ અને પાણીના ફુવારાનો ઉપયોગ કરો. રંગીન સોજી અને ચોખાસોજી અને ચોખા પણ રંગોળીને સુંદર દેખાવ અને અનુભૂતિ આપે છે. તેઓ તેમના નાજુક અને જાડા ટેક્સચરને કારણે ઓછા ઉપયોગમાં લેવાય છે અને પર્યાવરણ માટે દયાળુ છે. તેવીરીતે,